સ્લીપર અને મેટ્રો અત્યારે ડિઝાઇન તબક્કામાં છે. મેટ્રો જાન્યુઆરી સુધીમાં અને સ્લીપર આવતા વર્ષના માર્ચ સુધીમાં આવી જશે. ટૂંક સમયમાં, દર અઠવાડિયે ઓછામાં ઓછી બે નવી વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરવામાં આવશે કારણ કે કેન્દ્ર દરેક રાજ્યને ટ્રેનો સાથે જોડવાનું લક્ષ્ય ધરાવે છે, વૈષ્ણવે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "અમે ચારસો ટ્રેનો માટે ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરી છે અને અત્યારે અમે દર આઠ દિવસે એક ટ્રેન બહાર પાડીએ છીએ. ખૂબ જ ટૂંક સમયમાં અમે દર ત્રીજા દિવસે વ્યવહારીક રીતે એક ટ્રેન બહાર પાડીશું, પ્રથમ લક્ષ્ય દરેક રાજ્યને વંદે ભારત ટ્રેનો સાથે જોડવાનું છે, અમારું લક્ષ્ય છે કે જૂનના મધ્ય સુધીમાં અમે તે પૂર્ણ કરી લઈશું. તે પછી અમે એવા રૂટ લઈશું જે ખૂબ વ્યસ્ત છે. " રેલ્વે મંત્રાલય વિક્રમ ગતિ નવા રેલ પાટા પણ બનાવી રહ્યું છે, તેમ છતાં તે જૂનાને અપગ્રેડ કરી રહ્યું છે, વૈષ્ણવે જણાવ્યું હતું કે, "ગયા વર્ષે, અમે લગભગ પાંચ હજાર બસ્સો કિલોમીટર રેલ્વે ટ્રેક બનાવ્યા, દરરોજ રેકોર્ડ ચૌદ કિલોમીટર નવા ટ્રેક બનાવ્યા હતા. દર વર્ષ પહેલાં, તે દિવસમાં ત્રણ-ચાર કિલોમીટરનો હતો, જૂના ટ્રેકનું નવીકરણ, જ્યાં અમે તેને ઘણી રીતે અપગ્રેડ કરીએ છીએ, તે સંખ્યા દર વર્ષે લગભગ આઠ હજાર કિલોમીટર છે. " નવા ટ્રેક અને જે અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે તે વધુ ઝડપી ગતિને પણ હેન્ડલ કરવામાં સમક્ષ રહશે. વૈષ્ણવે કહ્યું હતું કે, "જૂના ટ્રેકને સિત્તેર-એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા, પરંતુ મોટા ભાગના ટ્રેકને અમે હવે અપગ્રેડ કરી રહ્યા છીએ, તે લગભગ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને હેન્ડલ કરી શકે છે અને તેમાંથી એક નોંધપાત્ર ભાગ એકસો સાઈઠ કિલોમીટરથી વધુની પ્રતિ કલાકની ઝડપનું સંચાલન પણ કરી શકે છે. કેન્દ્ર આગામી દાયકા સુધી ભારતના રેલ નેટવર્કમાં નોંધપાત્ર રકમનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે, એમ તેમણે જણાવ્યું હતું કે, "આપણે ઓછામાં ઓછા આગામી પંદર વર્ષ માટે દર વર્ષે ઓછામાં ઓછા ત્રણ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવું જોઈએ. " વૈષ્ણવે વંદે ભારત ટ્રેનોના નિર્માણની જટિલતા વિશે પણ વાત કરી, કારણ કે મશીનરીથી ટ્રેનો સજ્જ છે. "અમને વસ્તુઓને સંપૂર્ણ બનાવવામાં લગભગ છ-સાત મહિના લાગ્યા, ડિઝાઇન, સપ્લાય ચેઇન્સ વગેરેને સ્થાન આપવામાં, અમારે કોઇમ્બતુરમાં અમારી પોતાની કેટલીક કંપનીઓનો ઉપયોગ કરીને નવી સપ્લાય ચેઇન બનાવવી પડી હતી. જેમ જેમ વિકેન્દ્રિત ફાઇનાન્સ ઇકોસિસ્ટમ લોકપ્રિયતા મેળવે છે, તેમ તેમ નાણાકીય સેવાઓ વધુ વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ, વપરાશકર્તાઓની વિશાળ શ્રેણીને આકર્ષવા ઉપરાંત સુલભ બનવાની અપેક્ષા છે. " તાજેતરમાં નાના પુનરુત્થાન થયું છે જેનું મુખ્ય કારણ એપલ સ્ટોર પર ડીસેન્ટ્રલેન્ડ લોન્ચિંગ છે, તે ઉપરાંત સ્ટારબક્સ, રેડિટ અને લાઇક્સ દ્વારા -આધારિત લોયલ્ટી પ્રોગ્રામ્સ સાથે મોટી પ્રવૃત્તિ જોવા મળી છે.